કોઈએ કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી જેનું નિધન થયું હતું ઝડપથી અને અનપેક્ષિત રીતે. પરંતુ પછી કંઈક ખરેખર સરસ બનવાનું શરૂ કર્યું ફક્ત મને જવાબ આપવાને બદલે. લોકો એકબીજાને જવાબ આપવા લાગ્યા, તેઓ એકબીજા સાથે વાત કરતાં અને તેમના પોતાના અનુભવો શેર કરતાં. અને એકબીજાને દિલાસો આપતાં. અને એકબીજાને પ્રોત્સાહિત કરે છે તે મિત્ર સુધી પહોંચવા માટે કે તેઓ પહેલાં બોલ્યા ન હતા અથવા તે કુટુંબના સભ્ય કે જેઓ બહાર ગયાં હતાં. અને આખરે અમને મળ્યું આ નાનું જૂથ. એવું લાગ્યું કે આ સહારાનું જૂથ રચાયું છે કે જ્યાં તમામ પ્રકારના લોકો એકસાથે આવતા. અને મને લાગે છે કે જ્યારે આપણે ઓનલાઇન પોસ્ટ કરીએ, તક છે કે આ નાનું જૂથ રચાઈ શકે છે. ત્યાં એક તક છે કે તમામ પ્રકારના વિવિધ માણસો એકસાથે આવી શકે છે અને સાથે દોરાય છે. અને ક્યારેક ઇન્ટરનેટનો દ્વારા તમે લાગણીની સમાનતા મેળવશો. ક્યારેક તે જવાબો વાંચવામાં છે. અને ટિપ્પણી વિભાગોમાં જવાબ શોધવા કે જે ખાસ કરીને દયાળુ છે અથવા સમજદાર અથવા રમુજી. ક્યારેક તે કોઈને અનુસરવામાં છે. અને જોઈને કે તેઓ પહેલેથી જ તમને અનુસરે છે. અને ક્યારેક તે કોઈની સામું જોઈને જેને તમે વાસ્તવિક જીવનમાં જાણો છો અને તમે જે લખો છો તે અને તેઓ જે લખે છે તે વસ્તુઓ જોતાં અને જાણ્યું કે તમે ઘણું બધું શેર કરો છો કે જેમાં તેઓને પણ રસ છે. અને તે તેમને તમારી નજીકમાં લાવે છે. કેટલીકવાર, જો તમે નસીબદાર છો, તમને બીજા એકલાં સાથે મળવા મળે છે. પણ હું પણ ચિંતિત છું કારણકે આપણે બધા જાણીએ છીએ મોટાભાગના માટે ઇન્ટરનેટ એવું લાગતું નથી. આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના માટે ઇન્ટરનેટ એક સ્થળ છે જ્યાં આપણે એકબીજાને ગેરસમજ કરીએ છીએ, જ્યાં આપણે સંઘર્ષમાં આવીએ છીએ એકબીજાની સાથે, જ્યાં ત્યાં તમામ પ્રકારની મૂંઝવણ છે અને ચીસો છે અને ઘોંઘાટ છે અને એવું લાગે છે ત્યાં બધું ઘણું વધારે છે. મને લાગે છે કે પ્લેટફોર્મ જેનો ઉપયોગ ઓનલાઇન રહેવા કરીએ છીએ અજાણતાંપૂર્વક અથવા ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યું છે. પરેશાની અને દુરૂપયોગની મંજૂરી આપવા ખોટી માહિતી ફેલાવવા માટે, તિરસ્કાર અને દ્વેષપૂર્ણ ભાષણ અને તેમાંથી આવતી હિંસાને સક્ષમ કરવાં અને એવું લાગે છે અમારું વર્તમાન પ્લેટફોર્મ પૂરતૂં નથી તે સંબોધવા અને તે સુધારવા માટે. પરંતુ હજુ પણ અને કદાચ કમનસીબે, હું હજી પણ બીજા ઘણાની જેમ આ ઓનલાઇન જગ્યા તરફ દોરવાયેલ છું.